બીબીસીની ટેક્સ તપાસ સર્વેક્ષણ દરમિયાન આવકવેરા વિભાગે બીબીસીના વ્યવસ્થાપન અને નાણાકીય વ્યવહારો સાથે જોડાયેલા વિવિધ દસ્તાવેજો અને પુરાવા એકત્ર કર્યા હતા. વિભાગના જણાવ્યા અનુસાર, વિદેશમાં આવેલી જૂથની કેટલીક સંસ્થાઓ દ્વારા ભારતમાં આવક તરીકે દર્શાવવામાં આવેલા કેટલાક નાણાકીય વ્યવહારો પર જરૂરી ટેક્સ ચૂકવવામાં આવ્યો ન હોવાના પુરાવા મળ્યા હતા. આ કાર્યવાહી બીબીસી દ્વારા ગુજરાત રમખાણો, બે હજાર બે અંગેની ડોક્યુમેન્ટ્રી રજૂ કર્યાના થોડા સમય બાદ થઈ હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે યુટ્યુબ અને ટ્વિટરને ડોક્યુમેન્ટ્રીની લિંક્સ દૂર કરવાનો આદેશ આપ્યો હતો. સરકારના જણાવ્યા અનુસાર, આ સામગ્રી ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, જાહેર વ્યવસ્થા તથા વિદેશી દેશો સાથેના સંબંધોને અસર કરી શકે તેવી હતી. એપલ વિઝન પ્રો શું છે? એપલ વિઝન પ્રો એક મિશ્ર-વાસ્તવિકતા હેડસેટ છે, જેને એપલે “સ્પેશિયલ કમ્પ્યુટર” તરીકે રજૂ કર્યું હતું. તેનો હેતુ ડિજિટલ સામગ્રીને વપરાશકર્તાની આસપાસના વાસ્તવિક વાતાવરણ સાથે જોડવાનો છે. સરળ શબ્દોમાં કહીએ તો, હેડસેટ પહેર્યા પછી વપરાશકર્તા પોતાના આસપાસની વાસ્તવિક દુનિયા જોઈ શકે છે અને તેની ઉપર ડિજિટલ સ્ક્રીન, એપ્સ, વીડિયો અને અન્ય વર્ચ્યુઅલ સામગ્રીનો અનુભવ કરી શકે છે. તે સ્કી ગોગલ્સ જેવા દેખાતા હેડસેટમાં અનેક કેમેરા, સેન્સર્સ, ડિસ્પ્લે અને પ્રોસેસિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. હાર્ડવેર અને સોફ્ટવેરનું સંયોજન વપરાશકર્તાની આંખો, હાથની હિલચાલ અને આસપાસના વાતાવરણને સમજવામાં મદદ કરે છે. આવી ટેક્નોલોજીમાં ઊંચી કિંમત, બેટરી મર્યાદા, લાંબા સમય સુધી ઉપયોગ દરમિયાન અસ્વસ્થતા અને મર્યાદિત એપ સપોર્ટ જેવી સમસ્યાઓ વપરાશકર્તાના અનુભવને અસર કરી શકે છે.